ખરું ને? તેઓ વાદળમાંથી કેવી રીતે બહાર આવ્યા? " અથવા ઊંધુ કંઈક મહાન. તમે કોઈને મળશો અને હૃદય વિસ્ફોટ થાય છે. તમે તેમને ખૂબ પ્રેમ કરો છો, તમે સીધા પણ જોઈ શકતા નથી. તમને ચક્કર આવે છે. "પહેલાં કોઈને એવું લાગ્યું હતું? મારી સાથે શું થઈ રહ્યું છે? " અને તે સમયે જ્યારે કલા કોઈ વૈભવી નથી, તે ખરેખર ટકી રહે છે. આપણને તેની જરૂર છે. બરાબર. સારું, તે શું છે? માનવ સર્જનાત્મકતા આપણામાં પ્રાકૃતિક રીતે પ્રગટ છે. આપણે જોયું, અરે... ઓરોરા બોરીલીસ. ખરું ને? નાનો હતો ત્યારે મેં વ્હાઇટ ફેંગ નામે ફિલ્મ કરી હતી, અલાસ્કામાં શૂટ કર્યું, અને તમે રાત્રે બહાર જાવ અને આકાશ જાંબુડિયા અને ગુલાબી અને સફેદ રંગ સાથે લહેરાતું હતું, અને તે મેં જોયેલી સૌથી સુંદર વસ્તુ છે. તે ખરેખર આકાશ રમી રહ્યું હતું તેવું લાગ્યું. સુંદર. તમે સાંજે ગ્રાન્ડ કેન્યોન પર જાઓ. તે સુંદર છે. તે સુંદર છે તે જાણીએ છીએ. પણ પ્રેમમાં પડવું? તમારો પ્રેમી ખૂબ સુંદર છે. મારે ચાર બાળકો છે. તેમને રમતા જોતા? તેમને જોવા બટરફ્લાય હોવાનો ઢોંગ કરો અથવા ઘરની આસપાસ દોડો અને કંઈ પણ કરો, તે ખુબ સુંદર છે. અને હું માનું છું કે આપણે અંતરિક્ષમાં આ તારા પર છીએ એક બીજાને મદદ કરવાનો પ્રયાસ કરવો. ખરું ને? અને પહેલા આપણે ટકી રહેવું છે, અને પછી આપણે ખીલીએ છે. અને ખીલી, પોતાને વ્યક્ત કરવા, ઠીક છે, સારું, અહીં ઘસાવું છે: આપણે પોતાને જાણવું પડશે. તમે શું ચાહો છો? અને જો તમે જે પસંદ કરો છો તેની નજીક જાઓ, તમે કોણ છો તે જાહેર કરવામાં આવે છે, અને તે વિસ્તરે છે. મારા માટે, તે ખરેખર સરળ હતું. મેં મારી પ્રથમ રમત કરી હતી. હું બાર વર્ષનો હતો. હું જ્યોર્જ બર્નાર્ડ શો દ્વારા લખાયેલ સેંટ જોન નાટકમાં હતો મેકકાર્ટર થિયેટરમાં, અને તેજી! હું પ્રેમમાં હતો. મારું વિશ્વ હમણાં જ વિસ્તર્યું. અને તે વ્યવસાય હવે હું લગભગ વર્ષનો છું તે વ્યવસાયે મને પાછું આપવાનું ક્યારેય બંધ કર્યું નથી, અને તે વધુને વધુ પાછું આપે છે, મોટે ભાગે, આશ્ચર્યજનક રીતે, મેં ભજવેલા પાત્રો દ્વારા. હું પોલીસ બન્યો છુ, હું ગુનેહગાર બન્યો છુ. હું પાદરી બન્યો છુ, હું પાપી બન્યો છુ. અને આનો જાદુ આજીવન, ત્રીસ વર્ષથી વધુ સમય સુધી કર્યો, કે તમે મારા અનુભવ જોવાનું શરુ કરો છો, હું, એથન, લગભગ એટલું અનન્ય નથી જેમ મેં વિચાર્યું. હું આ બધા લોકો સાથે ખૂબ સામાન્ય છું. અને તેથી તેઓ મારી